પ્રોડ્યુસરનો દાવો:- "ડી-કંપનીએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપી"; લીગલ નોટિસને ફાડી નાખી. કૉપી લિંક ફિલ્મ 'કાલા હિરણ'ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી છે. અમિત જાનીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં તેમણે કહ્યું, "દરેક જણ મને પૂછી રહ્યું છે, મીડિયા, મિત્રો, કે સલમાન ખાનની નોટિસ પર તમારે શું કહેવું છે? આ નોટિસ પર હું શું કહું? છેલ્લા છત્રીસ કલાકથી તેમની ડોંગરી, ધારાવી, જોગેશ્વરીના મુસ્લિમ છોકરાઓની ફેન ફોલોઈંગ, તેમના ટૂલકિટે મને જાનથી મારી નાખવા, મુંબઈ આવવા અને માથું વાઢી નાખવાના હજારો મેસેજ મોકલ્યા છે, અને તેમના ટૂલકિટ દ્વારા એક મેસેજ, ભલે તે અસલી હોય કે નકલી, મને ખબર નથી, ડી-કંપનીના નામથી મોકલવામાં આવ્યો છે. ડી-કંપની છોડશે નહીં." જાનીએ આગળ કહ્યું કે, "તો હું કોનો જવાબ આપું? શું હું સલમાન ખાનની ટૂલકિટ દ્વારા અપાયેલી હજારો ગાળો અને ધમકીઓનો જવાબ આપું? શું હું આ નોટિસનો જવાબ આપું?" આ પછી જાનીએ નોટિસ ફાડતા કહ્યું કે, "આ જ તમારી નોટિસનો જવાબ છે." તેમણે આગળ કહ્યું, "હવે રહી તમારી ધમકી, તમારી જે ધમકી આપતી ટૂલકિટ છે, જે ગેંગ છે, તમારા જે બદતમીઝ ફેન છે, અને ધારાવીમાં ઉછરેલા કહેવાતા ગુંડાઓ છે, અથવા તમારા તે કહેવાતા ફેન જે જોગેશ્વરી અને ડોંગરીમાં રહે છે, અને ડી-કંપની તરફથી જે પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે પરિવારને ખતમ કરી દઈશું, મેં તમને તમારો જવાબ આપી દીધો છે. હવે અમે ડી-કંપનીને જોઈશું. મોકલો, જેને મોકલવા હોય." જ્યારે, આ પહેલા ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલા વીડિયોમાં અમિત જાનીએ કહ્યું હતું કે, "અમારી આખી ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. અમારી આખી ફિલ્મ સલમાન ખાનના દૃષ્ટિકોણથી નથી." તો ન્યૂઝ સાથેની વાતચીતમાં જાનીએ કહ્યું હતું કે, ''કાલા હિરણ' બિશ્નોઈ સમાજના સંઘર્ષ, તેમના વારસા અને વન્યજીવો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. સલમાન ખાન ફિલ્મનો માત્ર એક ભાગ છે." 'કાલા હિરણ'ને લઈને સલમાન તરફથી લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. ન્યૂઝ અઢારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "સલમાન તરફથી લો ફર્મ લીગલે કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને એક લીગલ નોટિસ મોકલી છે. આ નોટિસમાં 'કાલા હિરણ' નામની પ્રસ્તાવિત ફિલ્મના પ્રોડક્શન અને